વૈકલ્પિક એલિવેટેડ વાંસના ધ્રુવની ડિઝાઇન કોઈપણ દરવાજાની રચનાના કુદરતી વાતાવરણને વધુ ભાર આપી શકે છે. વાંસ વીનીયર ફિનિશ અદ્ભુત દેખાઈ શકે છે. પેસ્ટલ શેડ તમારા ઘરના ફ્લશ દરવાજા માટે વિનિયરનો ઉપયોગ કરવાનો સૌથી મોટો ફાયદો છે કે તમારે હવે જૂના બ્રાઉન શેડ્સ પર સંયમિત રહેવાની જરૂર નથી. તેના બદલે, તમે પિસ્તા લીલા અથવા સમુદ્ર વાદળી જેવા સુંદર પેસ્ટલ શેડ્સ પસંદ કરી શકો છો. તમારા ફ્લશ ડોર સુંદર દેખાવા માટે રંગબેરંગી શેડ્સમાં ગ્લોસી અથવા મેટ વિનિયરનો ઉપયોગ કરો. વિનિયર ફ્લશ દરવાજા માટે પેસ્ટલ શેડ્સનો લાભ લઈ શકાય છે. વુડ સ્ટમ્પ ડિઝાઇન વિનિયર સાથેની બીજી ફ્લશ ડોર ડિઝાઇન લાકડાના સ્ટમ્પ પેટર્નનો ઉપયોગ કરે છે. બાજુમાં મૂકવામાં આવેલા લાકડાના સ્ટમ્પ સ્ટ્રક્ચર્સ તમારા દરવાજાની ડિઝાઇનને કુદરતી અને કાચી અપીલ આપી શકે છે. વધુમાં,ડિઝાઇન વિચાર માટે, તમે ઘણા બધા રંગ વિકલ્પો મેળવી શકો છો અને લાકડાના સ્ટમ્પના કદને કસ્ટમાઇઝ કરી શકો છો, જેથી તમે ઇચ્છો તેટલું જટિલ દેખાય. લાકડાના સ્ટમ્પ વિનર ડિઝાઇન તમારા દરવાજાના કુદરતી સૌંદર્યમાં વધારો કરે છે. અમૂર્ત પેનલિંગ સાથે ફ્લશ દરવાજા. જો તમે તમારા ફ્લશ દરવાજા માટે કોઈપણ પરંપરાગત વિનિયર ડિઝાઇનને વળગી રહેવા માંગતા નથી, તો તમે અમૂર્ત પેનલિંગ પેટર્ન પસંદ કરી શકો છો. રંગેલું ઊની કાપડ, કથ્થઈ, કાળો અને પીળો જેવા વિવિધ રંગોનો મેલેન્જ ડિઝાઇન વિચારને સંપૂર્ણ રીતે ભાર આપી શકે છે. તરંગ જેવી પેટર્ન ડિઝાઇન વિચારના વશીકરણમાં ઉમેરી શકે છે. એબ્સ્ટ્રેક્ટ પેનલિંગ વિનીર ફ્લશ દરવાજા પર સારી રીતે કામ કરી શકે છે. કુદરતી રંગોમાં ફ્લશ ડોર કોઈપણ ફ્લશ ડોર માટે સૌથી સરળ વિનિયર ફિનિશ, તે તમારા ઘરમાં ગમે તે હોય, કુદરતી રંગોનો ઉપયોગ કરવો જરૂરી છે. જ્યારે ફ્લશ ડોર પર સંપૂર્ણ રીતે લાગુ કરવામાં આવે ત્યારે ડાર્ક અને લાઇટ બ્રાઉનના સરળ છતાં અત્યાધુનિક શેડ્સ અદ્ભુત દેખાઈ શકે છે. તમે ડિઝાઇન આઇડિયાનો ઉપયોગ તમારા ઘરના આંતરિક દરવાજાને સજાવવા માટે કરી શકો છો, પછી તે તમારા રસોડા, બેડરૂમ અથવા વૉશરૂમ માટે હોય. કુદરતી રંગો સુંદર લાકડાનું પાતળું પડ સાથે કોઈપણ ફ્લશ દરવાજા પર ભાર મૂકે છે. ફ્લશ દરવાજામાં સરળ મંડલા ડિઝાઇન અન્ય ફ્લશ ડોર ડિઝાઇન જે કોઈપણ ઘર ખરીદનારના હૃદયને આકર્ષી શકે છે તે એક સરળ મંડલા માળખું છે. લાકડાના કાગળના પાતળા ભાગો અથવા વિવિધ શેડ્સના ઝાડની છાલ સાથે મંડલા માળખું બનાવો. તમારા ઘરના પ્રાર્થના ખંડના દરવાજા માટે સંપૂર્ણ ઉમેરો હોઈ શકે છે. એક સરળ વિનિયર મંડલા કોઈપણ ફ્લશ દરવાજાને સારી રીતે પૂરક બનાવી શકે છે ઓફબીટ ગ્રે ફ્લશ ડોર છેલ્લે, જો તમને તમારા વિનિયર ફ્લશ ડોર માટે થોડો ઓફબીટ કલર